દૂધ બનાવવા માટે દરેક પગલામાં પાણીનો ઉપયોગ થાય છે, પરંતુ તે ખેતીનો તબક્કો છે જ્યાં મોટા તફાવતો બહાર આવે છે. ડેરી દૂધ સૌથી વધુ પાણી વાપરે છે- લગભગ એકસો વીસ લિટર પ્રતિ ગ્લાસ, મોટે ભાગે ગાયોને પાણી આપવું અને તેમનો ખોરાક ઉગાડવો. બદામ બીજા સ્થાને છે, એક ગ્લાસ દીઠ સિત્તેર લિટર પાણીથી વધુ. તેમાંથી મોટાભાગના પાણીનો ઉપયોગ બદામના ઝાડ ઉગાડવા માટે થાય છે. જે બદામનું ઉત્પાદન શરૂ કરતા પહેલા પાણી આપવાના વર્ષો લે છે. ઝાડને સતત પાણી પીવડાવવું જોઈએ, અથવા તેઓ મરી જશે, જ્યારે અન્ય ઘણા પાકને પડતર છોડી શકાય છે અને પછી પણ ઉત્પાદન થાય છે. બધાએ કહ્યું, સોયા અને ઓટને વધવા માટે ઓછા પાણીની જરૂર પડે છે: માત્ર પાંચ થી દસ લિટર પ્રતિ ગ્લાસ દૂધ. દૂધ ઉત્પાદનથી કેટલાક ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે- છોડ આધારિત દૂધ માટે લગભગ ઝીરો પોઈન્ટ વન થી ઝીરો પોઈન્ટ ટુ કિલોગ્રામ પ્રતિ ગ્લાસ. પરંતુ ડેરી દૂધ માટે, ગાયો પોતે પણ ઉત્સર્જન ઉત્પન્ન કરે છે મોટા પ્રમાણમાં ગેસ મિથેનને દબાવીને અને બહાર કાઢીને. એકંદરે, ડેરી દૂધનો દરેક ગ્લાસ અડધા કિલોગ્રામ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ફાળો આપે છે. તેથી જ્યારે તમારી આહારની જરૂરિયાતો પર આધાર રાખીને, આમાંથી કોઈપણ એક દૂધ આપણા ગ્રહના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ યોગ્ય હોઈ શકે છે. છોડ આધારિત દૂધ પસંદ કરવા માટે એક મજબૂત કેસ છે, ખાસ કરીને ઓટ અથવા સોયા દૂધ. લગભગ દસ હજાર વર્ષ પહેલાં, મનુષ્યો ખેતી કરવા લાગ્યા. આ કૃષિ ક્રાંતિ જે આપણા ઇતિહાસનો ટર્નિંગ પોઇન્ટ હતો. જે લોકોને સેટલ થવા માટે સક્ષમ બનાવે છે, નિર્માણ કરો અને બનાવો. ટૂંકમાં, કૃષિ સભ્યતાના અસ્તિત્વને સક્ષમ બનાવ્યું. આજે, લગભગ ચાલીસ ટકા આપણી પૃથ્વીની ખેતીની ખેતી છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. આ ખેતીની જમીનો શું વૈશ્વિક કોયડાના ટુકડાઓ છે આપણે બધા સામનો કરી રહ્યા છીએ: ભવિષ્યમાં, આપણે કેવી રીતે ખવડાવી શકીએ વધતી જતી વસ્તીના દરેક સભ્ય તંદુરસ્ત આહાર? આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે એક સેકન્ડથી પાછળ નથી કૃષિ ક્રાંતિ. પ્રથમ કૃષિ ક્રાંતિ લાક્ષણિકતા હતી વિસ્તરણ અને શોષણ દ્વારા, ખર્ચ પર લોકોને ભોજન કરાવવું જંગલો, વન્યજીવન અને જળ અને આબોહવાને અસ્થિર કરી રહ્યા છે પ્રક્રિયામાં. હવે પછીનો કોઈ વિકલ્પ નથી. કૃષિ સ્થિર આબોહવા પર આધાર રાખે છે. આગાહી કરી શકાય તેવી ઋતુઓ સાથે અને હવામાનની પેટર્ન. આનો અર્થ એ થયો કે આપણે રાખી શકતા નથી આપણી ખેતીની જમીનોનું વિસ્તરણ કર્યું છે. કારણ કે આમ કરવાથી નુકસાન થશે પર્યાવરણની સ્થિતિ જે ખેતીને શક્ય બનાવે છે તેને, સૌથી પહેલાં તો. તેના બદલે, આગામી કૃષિ ક્રાંતિ આઉટપુટ વધારવું પડશે લાંબા